અને ફિંગરપ્રિન્ટ રેખાઓની પહોળાઈ અને તેમની વચ્ચેનું અંતર લંબાઈ દ્વારા નક્કી થાય છે અમારી પોલિમર સાંકળો પણ બિલ્ટ-ઇનનું સ્તર સિસ્ટમમાં હતાશા. અને આપણે પણ બનાવી શકીએ છીએ વધુ વિસ્તૃત માળખાં જો આપણે અસમપ્રમાણતાવાળા પરમાણુઓનો ઉપયોગ કરીએ, જ્યાં એક પોલિમર ચેઇન અન્ય કરતા નોંધપાત્ર રીતે ટૂંકા હોય છે. અને સ્વ-એસેમ્બલ માળખું કે આ કિસ્સામાં રચાય છે ટૂંકી સાંકળો સાથે છે મધ્યમાં એક ચુસ્ત બોલ રચે છે, અને તે લાંબા સમયથી ઘેરાયેલું છે, પોલિમર સાંકળોનો વિરોધ કરવો, કુદરતી સિલિન્ડર રચે છે. અને આ સિલિન્ડરનું કદ અને વચ્ચેનું અંતર સિલિન્ડરો, સમયાંતરે, ફરી કેટલા સમયથી નક્કી થાય છે અમે પોલિમર સાંકળો બનાવીએ છીએ અને આંતરિક નિરાશાનું સ્તર. તો બીજા શબ્દોમાં, આપણે વાપરી રહ્યા છીએ મોલેક્યુલર એન્જિનિયરિંગ નેનોસ્કેલ સ્ટ્રક્ચર્સને સ્વ-એસેમ્બલ કરવા તે લીટીઓ અથવા સિલિન્ડર હોઈ શકે છે અમારી ડિઝાઇનનું કદ અને સમયાંતરે. અમે રસાયણશાસ્ત્ર વાપરી રહ્યા છીએ, રાસાયણિક ઇજનેરી, નેનોસ્કેલ સુવિધાઓ બનાવવા માટે કે અમને આપણા ટ્રાંઝિસ્ટરની જરૂર છે. પરંતુ ક્ષમતા આ રચનાઓ સ્વ-એસેમ્બલ કરવા માટે ફક્ત આપણને અડધો રસ્તો લઈ જાય છે, કારણ કે આપણને હજી જરૂર છે આ સ્ટ્રક્ચર્સને સ્થિત કરવા જ્યાં આપણને ટ્રાંઝિસ્ટર જોઈએ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટમાં. પરંતુ આપણે આ પ્રમાણમાં સરળતાથી કરી શકીએ છીએ વિશાળ માર્ગદર્શિકા સ્ટ્રક્ચર્સનો ઉપયોગ કરીને જે નીચે પિન કરે છે સ્વ-એસેમ્બલ માળખાં, તેમને જગ્યાએ લંગર અને બાકીના દબાણ સ્વ-એસેમ્બલ માળખાં સમાંતર બોલવું, અમારી માર્ગદર્શિકા રચના સાથે ગોઠવાયેલ છે. ઉદાહરણ તરીકે, જો આપણે બનાવવું હોય તો દંડ, ચાલીસ નેનોમીટર લાઇન, જેનું નિર્માણ કરવું ખૂબ મુશ્કેલ છે પરંપરાગત પ્રક્ષેપણ તકનીક સાથે, અમે ઉત્પાદન કરી શકો છો એક એકસોવીસ નેનોમીટર માર્ગદર્શિકા માળખું સામાન્ય પ્રક્ષેપણ તકનીક સાથે, અને આ રચના ત્રણ ગોઠવશે વચ્ચે ચાલીસ નેનોમીટર લીટીઓ. તેથી સામગ્રી કરી રહ્યા છે સૌથી મુશ્કેલ ફાઇન પેટર્નિંગ. અને અમે આ સમગ્ર અભિગમને કહીએ છીએ "નિર્દેશિત સ્વ-વિધાનસભા. " નિર્દેશિત સ્વ-વિધાનસભા સાથેનો પડકાર તે આખી સિસ્ટમ છે લગભગ સંપૂર્ણ રીતે ગોઠવવાની જરૂર છે, કારણ કે સ્ટ્રક્ચરમાં કોઈપણ નાના ખામી ટ્રાંઝિસ્ટર નિષ્ફળતાનું કારણ બની શકે છે. અને કારણ કે ત્યાં અબજો છે આપણા સર્કિટમાં ટ્રાંઝિસ્ટરની, આપણને લગભગ જરૂર છે પરમાણુ સંપૂર્ણ સિસ્ટમ. પરંતુ અમે અસાધારણ પગલાઓ પર જઈએ છીએ આ હાંસલ કરવા માટે, અમારી રસાયણશાસ્ત્રની સ્વચ્છતામાંથી આ સામગ્રી સાવચેત પ્રક્રિયા કરવા માટે સેમિકન્ડક્ટર ફેક્ટરીમાં સૌથી નાની નેનોસ્કોપિક ખામી દૂર કરવા માટે. તેથી નિર્દેશિત સ્વ-વિધાનસભા એક નવી ઉત્તેજક તકનીક છે, પરંતુ તે હજી વિકાસના તબક્કે છે. આપણે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી રહ્યા છીએ કે આપણે, હકીકતમાં, તેનો પરિચય કરી શકીએ સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે એક ક્રાંતિકારી